અને જો તમે ખરેખર તેની કાળજી લો છો, તમે નેટવર્ક વિજ્ઞાનમાં પીએચડી મેળવી શકો છો બુડાપેસ્ટમાં, બોસ્ટનમાં, અને તમે તેનો અભ્યાસ સમગ્ર વિશ્વમાં કરી શકો છો. થોડા વર્ષો પછી જ્યારે હું હાર્વર્ડ ગયો પ્રથમ સબાટિકલ તરીકે, મને રસ પડ્યો બીજા પ્રકારનાં નેટવર્કમાં. તે સમયે આપણી અંદરનાં નેટવર્ક્સ કેવી રીતે જનીનો અને પ્રોટીન અને ચયાપચય એકબીજા સાથે જોડાય છે અને તેઓ રોગ સાથે કેવી રીતે જોડાય છે. અને તે રસ તરફ દોરી દવા અંદર મોટા વિસ્ફોટ માટે નેટવર્ક મેડિસિન સહિત હાર્વર્ડ ખાતે વિભાગ જેમાં થ્રી હન્ડ્રેડ થી વધુ સંશોધકો છે જેઓ આ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરી રહ્યા છે દર્દીઓની સારવાર કરવા અને નવા ઉપચાર વિકસાવવા માટે. અને થોડા વર્ષો પહેલા, મેં વિચાર્યું કે હું લઈશ નેટવર્ક્સનો આ વિચાર અને નેટવર્ક્સમાં અમારી પાસે જે કુશળતા છે એક અલગ વિસ્તારમાં એટલે કે સફળતાને સમજવી. અને અમે તે કેમ કર્યું? અમે વિચાર્યું કે અમુક અંશે આપણી સફળતા નિશ્ચિત છે. નેટવર્ક્સ દ્વારા અમે ભાગ છીએ કે અમારા નેટવર્ક અમને આગળ ધકેલી શકે છે, તેઓ અમને પાછા ખેંચી શકે છે. અને જો આપણે ઉપયોગ કરી શકીએ તો હું ઉત્સુક હતો જે જ્ઞાન અને મોટા ડેટા અને કુશળતા જ્યાં આપણે નેટવર્ક વિકસાવીએ છીએ ખરેખર પ્રમાણિત કરવા માટે આ વસ્તુઓ કેવી રીતે થાય છે. આ તે પરિણામ છે. તમે જે અહીં જુઓ છો તે એક નેટવર્ક છે સંગ્રહાલયોમાં ગેલેરીઓ કે જે એકબીજા સાથે જોડાય છે. અને આ નકશા દ્વારા કે અમે ગયા વર્ષે મેપ આઉટ કર્યું. અમે ખૂબ જ સચોટ આગાહી કરવામાં સક્ષમ છીએ એક કલાકાર સફળતા જો તમે મને પ્રથમ પાંચ પ્રદર્શન આપો કે તે અથવા તેણીની કારકીર્દિમાં. આપણે સફળતા વિશે વિચાર્યું છે. અમને એ સફળતાનો અહેસાસ થયો માત્ર નેટવર્ક્સ વિશે જ નથી, ત્યાં ઘણા બધા છે કે અન્ય પરિમાણો. અને એક વસ્તુ આપણને સફળતાની જરૂર છે દેખીતી રીતે. તો ચાલો વ્યાખ્યાયિત કરીએ કે શું તફાવત છે પ્રભાવ અને સફળતા વચ્ચે. પ્રભાવ તે છે જે તમે કરો છો. તમે કેટલી ઝડપથી દોડો છો, તમે કયા પ્રકારનાં ચિત્રો દોરો, તમે કયા પ્રકારનાં કાગળો પ્રકાશિત કરો છો. જોકે અમારી કાર્યકારી વ્યાખ્યામાં સફળતા એ સમુદાયની છે તમે જે કર્યું તેની સૂચનાઓ તમારા પ્રદર્શનથી. તે તેને કેવી રીતે સ્વીકારે છે અને તે તમને તેના માટે કેવી રીતે ઇનામ આપે છે? અન્ય શરતોમાં તમારું પ્રદર્શન તમારા વિશે છે પરંતુ તમારી સફળતા આપણા બધા વિશે છે.